તે કોઈ નાનું પડકાર નથી અમારી સરહદોને આગળ વધારવા અને વિસ્તૃત કરવા. તે સમજશક્તિ લેશે, શોધ અને હિંમત. જૂના પ્રશ્નો છે લાંબા સમય માટે અમારી સાથે, અને તેઓ જતા નથી પોતાને માર્ગ આપવા માટે, અને તેઓ જતા નથી રાતોરાત માર્ગ આપવા માટે. જો આપણે મેનેજ કરીએ તો પણ પ્રશ્નો બદલવા માટે, જવાબો જટિલ બનશે, અને તેઓની જરૂર પડશે બલિદાન અને વેપાર. અને અસમાન દુનિયામાં, આપણે હંમેશાં છીએ ધ્યાન આપવું પડશે સત્તા કોની પાસે છે તે સવાલ પર વાતચીતમાં જોડાવા માટે અને કોણ નથી કરતું. પરંતુ ઇમિગ્રેશન ચર્ચાની સીમાઓ ખસેડી શકાય છે. તેમને ખસેડવું તે આપણા બધા પર છે. આભાર. . તાશ્કા યવાનવા તીવ્ર શ્વાસ બહાર મૂકે છે. હું તાશ્કા યવાનવા છું. હું અહીં મારી પત્ની સાથે છું. હું યવાનવા સમુદાય માંથી આવું છું, જે એકર રાજ્યમાં સ્થિત છે બ્રાઝીલીયન એમેઝોનમાં. અહીં પહોંચવામાં થોડા દિવસો લાગે છે. મેં હમણાં જ ગીત કર્યું અમને ફરીથી વરસાદી જંગલોની ભાવના તરફ જોડવા માટે પ્રાચીન સમયથી મારા માણસો યવાનાવા પ્રદેશમાં રહે છે. અમે આ સાકલ્યવાદી રીત જોઈએ છીએ કે કેવી પ્રકૃતિ છે. કુદરત, આપણુું સમગ્ર માનવતાનું છે અને અમે યવાનવા જોઈએ છીએ જીવંત પર્યાવરણને, જંગલને પરંતુ બધું હંમેશાં એક પડકાર હોય છે. મોટે ભાગે હવે કારણ કે મને લાગે છે તમારા માં ઘણા જાણો છો કે એમેઝોનમાં હવે આગ લાગી રહી છે. જે આપણા બધાને અસર કરે છે. એમેઝોનનો વિનાશ ફક્ત સ્વદેશી લોકોને અસર નથી કરતો, કારણ કે આપણે બધા જોડાયેલા છીએ. અમે મારા સમુદાયમાં જે પણ કરીએ છીએ, જો હું બધુ જ બાળી નાખું, જે અહીં તેને અસર કરશે, જ્યારે ક્રિસમસ પર અહીં બરફ આવે છે. જો તમે અહીં તેને પ્રદૂષિત કરો છો, તો જ્યારે વરસાદ મારા દેશમાં આવે છે, ત્યારે તેની અસર પડે છે. હું કહેતો કે આપણે બધા વૈશ્વિક ગામનાં છીએ. હું કહેતો હત, કે એમેઝોન માનવતાનું છે, જેમ સ્વદેશી વિશ્વમાં કરે છે તે જ રીતે માનવતાએ પણ કાળજી લેવાની જરૂર છે અને આ કારણોસર આજે આપણે જાગીને, એકત્રિત થવાનો સમય છે. અમે યવાનવા અમારું ભાગ ભજવી રહ્યા છીએ. અમે પૃથ્વી માત ની સંભાળ લઈએ છીએ. અને હવે, હું મારી પત્નીને આપું છું. લૌરા યવાનાવા: અમે અહીં અમારા રડતાં હૃદય સાથે છીએ. હું અહીં સ્મિત કરું છું, પણ મારું હૃદય રડી રહ્યો છે, કારણ કે આપણા ઘણા જંગલો નાશ કરવામાં આવી રહ્યા છે અને હું તમને એક સંદેશ આપવા માંગું છું. આ સંકટ માનવતાને બે